ઊંઘની શ્રેષ્ઠ દિશા, તેના ફાયદા અને મહત્વ અને આરામ માટે તમારા બેડરૂમની વ્યવસ્થા કેવી રીતે કરવી તે વિશે નીચે વધુ જાણો. સ્લીપિંગ પુનર્જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે. દક્ષિણ તરફ માથું રાખી અંદર સૂવાની દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂવાની શ્રેષ્ઠ દિશા છે. તમે તમારું માથું દક્ષિણ તરફ અને તમારા પગ ઉત્તર તરફ મોં કરીને રાખો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્રાણીઓ કુદરતી રીતે પોતાની જાતને દક્ષિણ-મુખી સૂવાની દિશામાં ગોઠવે છે. તે પણ સાબિત થયું છે કે જે વ્યક્તિઓ ઊંઘની શ્રેષ્ઠ દિશા માટેપદ્ધતિને અનુસરે છે તેમનું બ્લડ પ્રેશર ઓછું હોય છે અને ઊંઘની ગુણવત્તા સારી હોય છે. વૈજ્ઞાનિક ઢબે ઊંઘવા માટે શ્રેષ્ઠ દિશા માટે દક્ષિણ ધ્રુવ તરફ મુખ રાખવા પાછળનો તર્ક વાસ્તુ દ્વારા આપવામાં આવ્યો છે. પદ્ધતિના પ્રેક્ટિશનરોએ ઘરો અને આપણા શરીરને શક્તિઓ ધરાવનાર તરીકે જોયા. પૃથ્વી પર પણ ઊર્જાસભર ચુંબકીય ક્ષેત્ર છે. તેને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતોએ શોધી કાઢ્યું કેજીવનની સુધારેલી ગુણવત્તા માટે, આપણે આપણી કંપન શક્તિને કુદરતી ઊર્જા સાથે મેળ ખાવી જોઈએ. જો આપણે આપણા માથાને સંરેખિત કરવા જે આપણું ઉત્તર છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના દક્ષિણ ધ્રુવનો સામનો કરવા અને આપણા પગ જે આપણા દક્ષિણ છે, પૃથ્વીના ઉત્તર ધ્રુવ સાથે સંરેખિત કરવા માટે, આપણે વિપરીત ધ્રુવીય અસર બનાવીએ છીએ. અભ્યાસુઓએ પદ્ધતિને વૈજ્ઞાનિક સાબિત કરી છે. પુરાવા દર્શાવે છે કે આપણું શરીર પૃથ્વીના ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રો પ્રત્યે સંવેદનશીલ છે. ઊંઘની શ્રેષ્ઠ દિશાને અનુસરવાથી માથાનો દુખાવો ઓછો થાય છે, બ્લડ પ્રેશરનું સ્તર બહેતર બને છે અને સારી શાંત ઊંઘ આવે છે. ઝાડમાં સૂતો નર ચિત્તો ઉત્તર તરફ માથુંઅંદર સૂવાની દિશાઊંઘની શ્રેષ્ઠ દિશાની બરાબર વિરુદ્ધ છે. તમારું માથું ઉત્તર તરફ અને તમારા પગ દક્ષિણ તરફ મોં રાખીને સૂવાથી ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. શારીરિક રીતે, વ્યક્તિના શરીરને અસર કરતી ચુંબકીય ક્ષેત્રની ઊર્જાને કારણે બ્લડ પ્રેશર અને માથાનો દુખાવો વધે છે. તેનાથી ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ પણ થાય છે અને ઊંઘની કમી પણ આવે છે. ફક્ત એટલા માટે થાય છે કારણ કે આપણા લોહીમાં આયર્ન હોય છે અને જ્યારે આપણેરીતે સ્થિત હોઈએ છીએ ત્યારે તે આપણા મગજ અને શરીરના ઉપરના ભાગ તરફ વહે છે. ફેંગશુઈ તમારા પલંગનું માથું દક્ષિણ તરફ રાખવાની પણ ભલામણ કરે છે. પૂર્વ તરફ માથુંઅંદર સૂવાની દિશા પૂર્વછે જ્યાં સૌપ્રથમ સૂર્ય ઉગે છે અને તેમાં સકારાત્મક ઉર્જા હોય છે જે તમારા ભૌતિક શરીર સાથે વિપરીત નથી હોતી. તમે સૂર્યના કિરણોથી ઉત્સાહિત અને તાજગી અનુભવી શકો છો. તેથી, વાસ્તુ અનુસાર ઊંઘની સૌથી વધુ પસંદગીની અને શ્રેષ્ઠ દિશા છે. ખાસ કરીને સારી મેમરી અને શૈક્ષણિક સિદ્ધિઓ